મંગળપરી ફરીથી હીંચકા પર બેસી ગયા અને બબડ્યા,"સાલું, ગોપાળજી શેઠ વગર મેળ નહિ પડે." મંગળપરી ફરીથી વિચારોના વૃંદાવનમાં ખોવાયા ને ખોવાયા ત્યાં તો ગોપાળજી શેઠ આવ્યા. શેઠની સાથે મહેમાનો પણ હતા. મંગળપરીએ ઊભા થઈને હાથ જોડ્યા. શેઠે મંગળપરીને ખબર પૂછ્યા અને વધારે વાત કર્યા વગર મહેમાનોની સાથે અંદર ચાલ્યા ગયા. "સાલું, કસમયે અવાઈ ગયું છે." મંગળપરીનું મન પોકારી ઊઠ્યું, પરંતુ હવે તો એમની પાસે હીંચકે બેસી જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તેઓ બેઠા. થોડી વારમાં ભોજનની થાળી આવી. મંગળપરી મન ભરીને જમ્યા અને શેઠની રાહ જોવા લાગ્યા. એકાદ કલાક પછી ગોપાળજી શેઠ બહાર આવ્યા અને મંગળપરીએ મોકો ઝડપી લીધો અને ઊભા થઈ ગયા. એમણે આંખોમાં લાવી શકાય એટલી કરુણતા અને અવાજમાં લાવી શકાય એટલી ભાવુકતા લાવીને પોતાની દુખદ સ્થિતિનું વર્ણન કર્યું-"ગામડે તો ભૂખ ભડાકા લે છે. મંદિરમાં તો આખા દિવસમાં બે મૂઠી અનાજ પણ આવતું નથી. રોકડા પૈસા તો આમેય કોઈ ધરતું નહોતું. ગામમાં કોઈ સારું માણસ રહ્યું નથી. ખેડૂતોની પણ તાવડી તડાકા લેવા માંડી છે. ચોરી અને લૂંટફાટ વધી ગયાં છે. મારે વસ્તાર ઝાઝો છે ને આવકમાં મીંડું છે. મોટો છોકરો હીરા ઘસવાના કામમાં ટક્યો છે, ને નાનો પાછો આવ્યો છે. મોટાને ત્યાં ત્રણ છોકરાં છે, ને નાનાને દીવાળી પછી પરણાવી દેવો છે." મંગળપરીનું વર્ણન લાંબુ ચાલત, પરંતુ અંદર રોકાયેલા મહેમાનો બહાર આવ્યા તેથી શેઠ પણ એમની સાથે નીકળી ગયા. એમણે જતાં-જતાં મંગળપરીને આશ્વાસન આપ્યું- "મહારાજ, અમે બધાં હમણા દોડાદોડીમાં છીએ, રાજેશનાં લગ્ન પતે પછી ગામડે આવું છું. ભોળાનાથની દયાથી બધું ઠીક થઈ જશે." મંગળપરીને વિચાર આવ્યો,"આજ તો ભારે થઈ. કદાચ ટિકિટભાડું પણ માથે પડશે." તેઓ શેઠ ગમે ત્યારે પાછા ફરશે જ એવી ગણતરી સાથે ફરીથી હીંચકે બેસી ગયા. પરંતુ શેઠના બદલે વાવાઝોડા સમાન આવ્યો રાજેશ. રાજેશ ઝડપથી ઘરમાં જતો હતો એ જ વખતે-વખતે મંગળપરી પણ ઝડપથી હીંચકા પરથી ઊતરીને એની સાથે હાથ મિલાવવા ગયા. બંનેની ઝડપના કારણે બેઉનાં માથાં ટકરાઈ ગયાં, અને બંને જણા પડતાં-પડતાં બચ્યા. રાજેશના મોઢામાંથી સ્વરચિત ગાળ નીકળી પડી. મંગળપરીએ ગાળને પચાવીને પૂછ્યું-"ઓળખ્યો મને?" રાજેશનો આઘાત હજી શમ્યો નહોતો. એણે ગુસ્સામાં કહ્યું-"તારા જેવા અહીં સત્તરસો આવે છે. હું કેટલાને ઓળખતો ફરું?" મંગળપરીને રાજેશ સાથે આવો પનારો પહેલી વખત જ પડ્યો હતો. એણે પોતાની ઓળખાણ આપી-"હું મંગળપરી. તમારા જૂના ગામનો." મંગળપરીની ઓળખાણ પડતાં જ રાજેશ જાણે ધગધગતું એન્જિન બની ગયો. એ તાડતું કર્યું તું